રસાયણોના વપરાશની બચત થાય છે. ઘણી રાજ્ય સરકારો પહેલાથી જ તમામ નવી ઇમારતો માટે વરસાદી પાણીના સંગ્રહને ફરજિયાત બનાવી દીધી છે. રુડોલ્ફ હાલની સમસ્યા પર બોલતા ઉમેર્યું, આપણે ખરેખર સંરક્ષણની ટેવ બનાવવાની જરૂર છે. કેટલા લોકો વશિંગ મશીનમાંથી વિસર્જિત પાણી એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ ફ્લશિંગ માટે કરે છે? તમે તે રીતે વન હંડ્રેડ લિટર પાણી બચાવી શકો છો. લીક નળને ઠીક કરવા, એડજસ્ટેબલ શોર્ટ ફ્લશિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને પાણી બચાવવા જેવી સરળ વસ્તુઓ. ભારત, આઝાદીને વિકાસશીલ દેશ તરીકે બ્રાન્ડેડ બનાવ્યા પછીના પાઠથી વધુ વર્ષ પછી પણ. વિકસિત દરજ્જો હાંસલ કરવાનો અર્થ એ છે કે આપણી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન આપવું, જ્યાં લોકો સારી રીતે અને ગરીબીની રેખાથી ઉપર રહે છે. આગામી ફિફટિન થી ટ્વેન્ટી વર્ષમાં પરિવર્તન સાકાર થઈ શકે છે કારણ કે ભારત પાસે જરૂરી સંભાવના છે. અન્ય ઘણા દેશોની સરખામણીમાં આપણા કુદરતી સંસાધનો વધુ સમૃદ્ધ છે. અમારી પાસે બધા અયરો અને ખનિજોનો વિપુલ પ્રમાણમાં પુરવઠો છે. આપણી પાસે સમૃદ્ધ જૈવિક વિવિધતા, વિપુલ પ્રમાણમાં તડકો, વિવિધ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓ અને આખા ભારતમાં પુષ્કળ વરસાદ છે. દેશમાં પહેલાથી જ આવશ્યક તકનીકીઓ છે અથવા તેનો વિકાસ સરળતાથી થઈ શકે છે. આપણા લોકો અને આપણા ખેડુતોમાં ફક્ત શિક્ષણની ક્ષમતા જ નથી પરંતુ તેમાંથી મોટાભાગની ઉદ્યોગસાહસિક અને સ્પર્ધાત્મક ભાવના પણ છે. આ ભાવનાને રચનાત્મક અને ઉત્પાદક રૂપે વહેંચી લેવાના માર્ગો જરૂરી છે. આપણે પગલાં લેવાની ઇચ્છાની જરૂર છે અને વિશ્વના નેતાઓમાંના એક બનવા માટે પોતાને પ્રતિબદ્ધ કરીએ છીએ. આપણે લાંબા ગાળાની દ્રષ્ટિથી સખત મહેનત કરવાનો સંકલ્પ કરવો જ જોઇએ. તેથી, ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા આપણા પ્રતિભાશાળી વૈજ્. ાનિકો, સંશોધનકારો અને ટેકનોલોજીસ્ટના વિશાળ પૂલ દ્વારા ભજવવાની છે. તેઓએ નિરાશાવાદ છોડવો જોઈએ અને મોટું વિચારવું જોઈએ કારણ કે તે ફક્ત તે જ છે જે તકનીકી આધુનિકીકરણના દળોને સમજે છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે તેમને એક પડકાર તરીકે લેવું જોઈએ. તેઓએ શું કરી શકાય છે તે વિશે વાત કરીને અને મુશ્કેલીઓને દૂર કરી શકાય તેવા લોકોને પ્રોત્સાહિત કરીને આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. તેઓએ ઉદ્યોગો, વ્યવસાયિક સંચાલકો, સંચાલકો અને અન્ય લોકો માટે મને શક્ય મદદ કરવી જોઈએ. ભારતમાં એઈટ મી માર્ચ ઘણા દાયકાઓથી મહિલા દિવસ રહ્યો છે. વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને પછીના વડા પ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં તેને મોટો પ્રોત્સાહન મળ્યું, જેમણે મોટી સંખ્યામાં 'પદાર્થની મહિલાઓને' દિલ્હીમાં ઉજવણી માટે આમંત્રિત કરવાની પ્રથા કરી. જેમ જેમ વધુ અને વધુ ભારતીય મહિલાઓ તેમની સમાન દરજ્જો અને શિક્ષણ અને તકના અધિકાર વિશે જાગૃત થાય છે, તેમ તેમ એઈટ મી માર્ચ વધુ અને વ્યાપક મહત્વ પ્રાપ્ત કરે છે. આજે, ટ્વેન્ટી વન મી સદીમાં ભારતની મહિલાઓ તેમની અદ્ભુત સિદ્ધિઓની ઉજવણી કરે છે, તેઓ